કામિની બાએ બે હજાર બાર ની વિધાનસભાની ચૂંટણીમાં દહેગામ બેઠક પરથી મતોના ઓછા માર્જિનથી જીત મેળવી હતી પરંતુ બે હજાર સત્તર ની ચૂંટણીમાં ભાજપના બલરાજસિંહ ચૌહાણ દ્વારા તેમનો પરાજય થયો હતો. હિમાંશુ વ્યાસ પણ ભાજપમાં જોડાયા ઉલ્લેખનિય છે કે, કામિનીબા રાઠોડ થી સુધી દહેગામ બેઠકના ધારાસભ્ય રહી ચુક્યા છે. જો કે, બે હજાર સત્તર ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા હિમાંશુ વ્યાસે પણ કોંગ્રેસ પાર્ટીના સેક્રેટરી પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં તેમની વાત સાંભળવામાં આવતી નથી. તેમણે ત્યાં સુધી કહ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળવું મુશ્કેલ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી ગુજરાતમાં તમામ રાજકીય પક્ષો વિધાનસભા ચૂંટણીના પ્રચાર અભિયાનમાં વ્યસ્ત છે. ભાજપે ચૂંટણી પ્રચાર માટે દિગ્ગજ લોકપ્રીય નેતાઓની આખી ફોજ મેદાનમાં ઉતારી દીધી છે, તો બીજી બાજુ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ભારત જોડો યાત્રામાંથી થોડોક વિરામ લઇને ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન સંભાળી છે. તો બીજુ બાજુ આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતની વિધાનસભામાં પોતાનું ખાતું ખોલવા માટે જોરદાર પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કામાં એક ડિસેમ્બરના રોજ નેવ્યાસી બેઠકો પર મતદાન થશે. તો બીજા તબક્કામાં તરફ પાંચ ડિસેમ્બરના રોજ ત્રાણું બેઠકો પર મતદાન થશે. આ મતદાનના પરિણામો આઠ ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે અને તમામ રાજકીય પક્ષો વધુમાં વધુ બેઠકો જીતવા પ્રયાસ કરી રહી છે અને તેની માટે પૂરજોશમાં પ્રચાર પ્રચાર પણ ચાલી રહ્યો છે. હાલ રાજકીય પક્ષો સમગ્ર ગુજરાતની અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, જામનગર, ભાવનગર અને જૂનાગઢ સહિતની આઠ મહાનગરપાલિકીની ચુમાલીસ શહેરી બેઠકો પર બાજ નજર રાખી રહ્યા છે. આઠ શહેરી વિસ્તારની ચુમાલીસ બેઠકો ભાજપ માટે નિર્ણાયક ગુજરાતના શહેરી વિધાનસભાની બેઠકો શાસક ભાજપ માટે હંમેશા મુખ્ય ગઢ રહ્યા છે, જે પક્ષને મતદાન બાદ ચૂંટણીમાં નિર્ણાયક જીત હાંસલ કરાવી આપે છે. જો કે આ વખતની ચૂંટણીમાં ભાજપે તેના જૂના હરીફ કોંગ્રેસ ઉપરાંત અન્ય બે રાજકીય પક્ષ અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વવાળી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન એ આ વખતે ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે, અને તેમણે પણ શહેરી વિસ્તારની કેટલીક બેઠકો પર જીતનો દાવો કર્યો છે.